ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે જૂના બોલથી ઈંગ્લેન્ડને ફાયદો થયો હતો અને તેઓ જીતી ગયા હતા. આ આરોપો બાદ ડ્યુક બોલ બનાવતી કંપનીના માલિક દિલીપ જાજોડિયા પોતે આ મામલે તપાસ કરશે. તેમને લાગે છે કે આવા આરોપોથી તેમનું નામ ખરાબ થઇ રહ્યું છે. દરેક બોલ પર લખવામાં આવે છે તારીખ દિલીપ જાજોડિયાએ કહ્યું કે હું જાતે જ આ મામલાની તપાસ કરીશ, કારણ કે મારા પર તેની અસર થઈ રહી છે. મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે લોકો બોલ વિશે ખોટી વાતો ન કરે. તેમણે બોલના ઉપયોગ અંગેના નિયમો સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે જે પણ બોલ બનાવીએ છીએ તેના પર તારીખની સ્ટેમ્પ હોય છે. તે બોલ પર લખેલું હશે. અમે ગ્રાઉન્ડને બોલ આપીએ છીએ. તેના પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને આઇસીસીનો કોઈ કંટ્રોલ ન હતો. આ બધું ગ્રાઉન્ડ ઓથોરિટીનું કામ છે. ઓવલ ટેસ્ટમાં આ સરેનું કામ છે. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી: સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? મને નથી લાગતું કે કોઇ જૂની તારીખનો બોલ બોક્સમાં રાખશે. બોલ પર તારીખ સારી રીતે લખવામાં આવી છે ગોલ્ડ કલર નીકળી જાય તો પણ તારીખ મિટાતી નથી. તારીખને હટાવી દેવી આસાન નથી. હું એમ નથી કહેતો કે તે અશક્ય છે પરંતુ તે ખૂબ જ અસંભવિત છે. રિકી પોન્ટિંગે તપાસની માંગ કરી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પાંચમા દિવસની આખરી પળોમાં બોલ બદલવાની ઈંગ્લેન્ડની યોજના સામે સવાલ ઉઠાવ્યા હતા અને તત્કાળ તપાસની માગ કરી હતી. જોકે આઇસીસીએ તેમના દાવાને ફગાવી દીધો હતો. ઉસ્માન ખ્વાજાએ પણ બોલ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને તેની તપાસ કરવાની વાત કહી હતી. પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો થયો હતો પરાજય પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણસો ચોર્યાસી રનનો પડકાર મળ્યો હતો। ક્રિકેટસ્પોર્ટ્સ તમિલનાડુ સ્ટાલિન સરકારના મંત્રી વી સેંથિલ મામલે હાઇડ્રામા, હવે બોલ એટર્ની જનરલ પાસે તમિલનાડુ સ્ટાલિન સરકારના મંત્રી વી સેંથિલ મામલે હાઇડ્રામા, હવે બોલ એટર્ની જનરલ પાસે.. માં કથિત નોકરી કૌભાંડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચૌદ જૂને ધરપકડ કરવામાં આવેલ બાલાજી હાલમાં હૃદયની બાયપાસ સર્જરી કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.